આપણે બધા જીવનમાં એક એવા વળાંકની રાહ જોતા હોઈએ છીએ જ્યાં બધી જ મુશ્કેલીઓનો અંત આવી જાય અને જિંદગી એકદમ સ્મૂધ થઈ જાય. પરંતુ શું ખરેખર એવો કોઈ સમય આવે ખરો? આ પ્રશ્નનો ઉત્તર આપતી એક અદભુત અને પ્રેરણાદાયી લોકકથા સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે, જે જીવન જીવવાનો દૃષ્ટિકોણ બદલી નાખે તેવી છે. આ વાર્તા છે એક એવા માણસની જે આખો દિવસ ચિંતાઓથી ઘેરાયેલો રહેતો હતો. આર્થિક તંગી, રોજબરોજના પારિવારિક ઝઘડા અને ભવિષ્યની અસલામતીના કારણે તેની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. એક દિવસ તે વિસ્તારમાં એક સિદ્ધ સંત પધાર્યા. તેમની ખ્યાતિ સાંભળીને આ નિરાશ વ્યક્તિ પણ પોતાની સમસ્યાઓનું પોટલું લઈને તેમની પાસે પહોંચ્યો. તેણે કરગરીને કહ્યું, "મહારાજ, હું આ રોજ-રોજની નાની-મોટી પરેશાનીઓથી થાકી ગયો છું. મને કોઈ એવો ચમત્કારી ઉપાય બતાવો કે મારા જીવનમાંથી બધી જ સમસ્યાઓ એકસાથે ગાયબ થઈ જાય!" સંતે તેની વાત શાંતિથી સાંભળી અને સ્મિત સાથે કહ્યું, "હું તને રસ્તો ચોક્કસ બતાવીશ, પણ તે પહેલાં તારે મારું એક નાનું કામ કરવું પડશે. આજે રાત્રે તારે મારી ગૌશાળાની બધી ગાયોની દેખરેખ રાખવાની છે. શરત માત્ર એટલી છે કે જ્યારે બધી ગાયો સૂઈ જાય, ત્યારે જ તારે સૂવાનું છે." તે માણસને થયું કે આ તો બહુ સરળ કામ છે. પરંતુ ગૌશાળામાં રાત વિતાવતા જ તેને અસલી પરિસ્થિતિ સમજાઈ. ગૌશાળાની એ રાત અને જીવનનો સૌથી મોટો પાઠ. રાત વધી તેમ તેણે જોયું કે જ્યારે એક ગાય બેસે કે સૂવે, ત્યાં બીજી ઊભી થઈ જાય. તે બીજીને બેસાડવા જાય ત્યાં ત્રીજી ગાય ઊભી થઈ જાય. આખી રાત આ જ ક્રમ ચાલતો રહ્યો. એક પણ એવો ક્ષણ ન આવ્યો જ્યારે બધી ગાયો એકસાથે સૂતી હોય. પરિણામે, તે માણસ આખી રાત જાગતો રહ્યો અને સવારે એકદમ થાકેલો-હારેલો સંત પાસે પાછો ફર્યો. સંતે પૂછ્યું, "કેમ ભાઈ, રાત્રે ઊંઘ કેવી આવી?" તેણે નિસાસો નાખીને કહ્યું, "મહારાજ, હું એક પળ પણ સૂઈ શક્યો નથી. બધી ગાયો ક્યારેય એકસાથે સૂતી જ નથી!" ત્યારે સંતે હસીને જીવનનું પરમ સત્ય સમજાવતા કહ્યું, "ભાઈ, આપણું જીવન પણ આ ગૌશાળા જેવું જ છે અને સમસ્યાઓ આ